ચીનમાં કોરોના વાયરસને કારણે વધુ ચૌદના મોત થતા કુલ મૃત્યુઆંક ત્રણ હજાર બસ્સો તેર થયો છે. જ્યારે ચીનમાં આવેલા બાર મુસાફરો આ વાયરસથી અસરગ્રસ્ત હોવાનું જણાતા કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધીને એક સો તેવીસ થઈ છે. જેથી ચીને વિદેશમાંથી આવનાર મુસાફરોને ચૌદ દિવસ ફરજિયાત તબીબી દેખરેખ હેઠળ રાખવાનો નિર્ણય લીધો છે. રાજ્ય અને કેન્દ્રશાશિત પ્રદેશો માટે પણ હેલ્પલાઇન નંબર જાહેર કરાયા છે. વપરાશમાં લેવાયેલા ટિમ્ પેપર બંધ કચરાપેટીમાં ફેંકવા જણાવાયું છે. ચીનના રાષ્ટ્રીય આરોગ્ય પંચના જણાવ્યા પ્રમાણે સ્થાનિક સરકારે વિદેશથી આવતા કોવિડ-નાઈનટીન નાં કેસો સામે લેવામાં આવતા પગલાંના ભાગરૂપે વિદેશથી ચીન આવતા મુસાફરો સહિત આંતરરાષ્ટ્રીય મુસાફરોને તબીબી દેખરેખ હેઠળ રાખવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ પગલાને આવકાર્યું છે. દરમિયાન અનિલ અંબાણીએ વ્યક્તિગત કારણસર આજે એન્ફોર્સમેન્ટ વિભાગ સમક્ષ ઉપસ્થિત રહેવામાંથી મુક્તિ આપવાની રજૂઆત કરી છે. જેના પગલે તેમને નવી તારીખ ફાળવવામાં આવે તેવી શક્યતા છે. આ નિર્ણય સાથે અમેરિકાની ફેડરલ રિઝર્વ સંસ્થા વૈશ્વિક અર્થતંત્રમાં પૂરતા પ્રમાણમાં રોકડની તરલતા ઉપલબ્ધ થાય અને આ વ્યવસ્થા ટકી રહે તે માટે બાંહેધરી આપનાર અન્ય કેન્દ્રીય બેંકો સાથે જોડાઈ છે. વર્ષ બે હજાર આઠ માં વૈશ્વિક આર્થિક કટોકટી દરમિયાન લગભગ આજ દરે વ્યાજદર લઈ જવાયા હતા. કોરોના વાઈરસ સંક્રમણ બાબતે કોઈ પણ જાણકારી માટે ચોવીસ કલાક કાર્યરત હેલ્પલાઇન નંબર અગિયાર તેવીસ સત્તાણું એંસી છેતાલીસ શરૂ કરવામાં આવ્યો છે. યસ બેંકમાંથી મોટુ ધિરાણ મેળવીને તેની પરત ચૂકવણીમાં વિલંબ થયો હોય તેવા મોટા જૂથોમાં અનિલ અંબાણી જૂથની કંપનીઓનો સમાવેશ થાય છે. ફેડરલ રિઝર્વે અર્થતંત્ર ફરીથી પુર્વવત સ્થિતિમાં ન થાય ત્યાં સુધી ઓછા વ્યાજદર રાખવાનો નિર્ણય લીધો છે. સાબુ અને પાણીથી હાથ સારી રીતે ધોવા અથવા અલ્કોહોલયુક્ત સેનિટાઈઝરથી સાફ કરવા તથા ઉધરસ ખાતી વખતે કે છીંક આવે તે સમયે રૂમાલ કે ટિસ્યુ પેપરનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. શ્રી જયશંકરે ભારતીયોને સલામત રીતે પાછા લાવવામાં મદદ કરવા બદલ ઈરાનના સત્તાવાળાઓનો આભાર માન્યો છે. ફેડરલ રિઝર્વએ યુરોપીયન સેન્ટ્રલ બેંક, બેંક ઓફ ઈંગ્લેન્ડ, બેંક ઓફ જાપાન, બેંક ઓફ કેનેડા, અને સ્વિસ નેશનલ બેંકની સાથે સંકલન સાધીને આ કામગીરી કરી છે. આરોગ્ય મંત્રીએ કોરોના અંગે પુછપરછ માટે લોકોની સંખ્યા વધતા ચોવીસ કલાક માટે હેલ્પલાઈન સાથેના નિયંત્રણ કક્ષની ક્ષમતા વધારવાનો નિર્દેશ અધિકારીઓને આપ્યો છે. ઈરાનના કોરોનાથી અસરગ્રસ્ત તહેરાન અને શિરાઝ પ્રાંતમાંથી ત્રેપન ભારતીયોની ચોથી ટુકડી ભારત પાછી ફરી છે. આ જૂથ દ્વારા બાર હજાર આઠ સો કરોડ રૂપિયાનું ધિરાણ યસ બેંકમાંથી મેળવવામાં આવ્યું છે, અને તેની પરત ચૂકવણી સંપૂર્ણ રીતે થઈ નથી. છેલ્લા બે સપ્તાહમાં વ્યાજદરમાં કરાયેલો આ બીજી વખતનો ઘટાડો છે. આ બેઠકમાં આંતરરાષ્ટ્રીય સ્તરે કોવિડની સ્થિતિ અને ભારત સરકાર તેમજ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ કોરોનાના ફેલાવાને રોકવા લીધેલા પગલાંઓની વિગતો આપવામાં આવી હતી. રાજ્ય અને સ્થાનિક આરોગ્ય એજન્સીએ સરકારો અને રોગ નિયંત્રણ તથા નિવારણ માટેના અમેરિકાના કેન્દ્રોના જણાવ્યા પ્રમાણે અમેરિકામાં લગભગ ત્રણ હજાર ચાર સો પંચાસી કેસ નોંધાયા છે, અને પાંસઠ જણાનાં મોત થયા છે.